જો પ્રોસેસરની અંદર ભાગ ન હોય તો તે એક જ પ્રોસેસર ગણાશે અને તેની પાસે આપણે એક સમયે એક જ કામ કરાવી શકીશું. જો પ્રોસેસરની અંદર ભાગ હશે તો પ્રોસેસરની અંદર અલગ ભાગ પડે છે તેને લીધે આપણે પ્રોસેસરને કોઈ પણ કામ સોંપીશું તો તે બે ભાગ એક સાથે મળીને તે કામ કરશે તો તે કામ જલ્દી પૂરું થશે. ઉદાહરણ તરીકે તમે એક વ્યક્તિ પાસે કોઈ એક કામ કરાવો તો તેને એક કામ કરવા માટે એક કલાક થાય છે અને જો તમે તે એક જ કામને બે વ્યક્તિ પાસે કરાવો તો તમારું તે કામ બે વ્યક્તિ સાથે વહેંચાઈને જલ્દી પુરુ થશે અને તેમાં અડધો કલાક જ સમય લાગશે. આવી રીતે પ્રોસેસરમાં જો ચાર ભાગ હોય તો પ્રોસેસરમાં ચાર અલગ-અલગ ભાગ હોવાથી તે કામ પ્રોસેસર જલ્દી પતાવી શકશે. તો પ્રોસેસરમાં આવી રીતે ભાગ પાડીને કામ જલ્દી પુરુ થઈ શકે તેના માટે પ્રોસેસરમાં ભાગ ની જરૂરત પડે છે. પ્રોસેસરમાં નેનોમીટર શું હોય છે? પ્રોસેસરમાં હજારો કે તેથી વધારે ટ્રાંજિસ્ટર લગાવેલા હોય છે જેનો આકાર ખૂબ નાનો હોય છે અને તે ટ્રાંજિસ્ટર વચ્ચેની જેટલી જગ્યા હશે તે નેનોમીટરમાં મપાય છે. તે ટ્રાંજિસ્ટર વચ્ચેની જગ્યા જેટલી નાની હશે તેટલું પ્રોસેસર વધારે ઝડપી કામ કરશે. તેને લીધે પ્રોસેસરમાં જે નેનોમીટર હોય છે અને તે પ્રોસેસર વચ્ચેની જે જગ્યા હોય છે તો તેને માપવા માટે ઉપયોગ થાય છે. અત્યારના પ્રોસેસર સાત ના આવે છે. પ્રોસેસરમાં થ્રેડ શું હોય છે? પ્રોસેસરમાં થ્રેડ એક પ્રકારનો જ હોય છે પણ આ થ્રેડ એક હોય છે. પ્રોસેસરમાં થ્રેડ એટલે જે હોય છે તો તેમાં જ એક અલગ ભાગ બનાવવો પણ આ ભાગ ભૌતિક રીતે નથી હોતો, બસ તેને કોડ કરીને પ્રોગ્રામ કરવામાં આવે છે અને આ ભાગ એક નવા ભાગની જેમ વર્તન કરે છે. તો મિત્રો આશા છે કે તમને આજે પ્રોસેસર વિશે ઘણું નવું જાણવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો જેથી તેઓ પણ પ્રોસેસર વિશે આવું નવું જાણી શકે.